ઈન્ટરનેટ વિજ્ઞાન કે વિકૃતિ?: આ વાર્તા દ્વારા હું આજના કિશોર અને યુવાપેઢીને કંઈક કહેવા માંગુ છું. હજુ કાલે જ સમાચારમાં મેં જોયું કે કેટલાક ટીનેજર્સ ઈન્ટરનેટનો દુરુપયોગ કેટલી હદે કરે છે. આજના મા-બાપએ પણ સમજવું જોઈએ કે ટેક્નોલોજીનો ઉપયોગ જ્ઞાન વધારવા માટે છે, માનસિક વિકૃતિ વધારવા માટે નહિ. સમાજને નવી સોચ તરફ વાળવા માટે વિજ્ઞાન જરૂરી છે, સમાજને પતન તરફ લઈ જવા માટે નથી. આજે રોહિત ખૂબ ખુશ હતો. હોય જ ને, કાલે તેનો તેરમો જન્મદિવસ હતો. મમ્મી-પપ્પા તરફથી કંઈક સરપ્રાઈઝ ગિફ્ટ દર વખતની જેમ મળવાની હતી. દાદાએ પણ કંઈક પ્લાનિંગ કર્યું હશે. સવાર પડવાની રાહ જોતા રોહિતને રાતે આવા વિચારોથી ઊંઘ પણ માંડ-માંડ આવી. સવાર પડી કે તરત જ રોહિત દોડતો ડ્રોઈંગરૂમમાં આવ્યો. તેની આશા મુજબ મમ્મી-પપ્પા અને દાદાએ હેપી બર્થડે ટુ યુ જોરથી ગાઈ વિશ કર્યું. રોહિત દોડીને બધાને વળગી પડ્યો. ટેબલ પર રોહિતની ફેવરિટ કેક ચોકલેટ આલ્મંડ રેડી જ હતી. રોહિતે કેક કટ કરી, દાદાને ખવડાવી, મમ્મી-પપ્પાને ખવડાવી. એ પછી તરત જ પપ્પા તરફ હાથ લંબાવી પૂછ્યું, "મારી ગિફ્ટ?" પપ્પાએ પ્રેમથી રોહિતના હાથમાં લાલ રિબનથી સજાવેલું લેપટોપ મૂક્યું. રોહિતની આંખો ફાટી ગઈ. થેન્ક યુ કહી તે પપ્પાને ભેટી પડ્યો. રોહિતે હવે દાદા સામુ જોયું, દાદા સમજી ગયા. રોહિતના હાથમાં એક બોક્સ મૂક્યું. રોહિતે ફટાફટ બોક્સ ખોલી નાખ્યું, જોયું તો તેમાં ત્રણ બંદરની મૂર્તિ હતી. રોહિત આશ્ચર્યથી દાદા સામે જોઈ રહ્યો. દાદાએ રોહિતનો સવાલ સમજી જતાં કહ્યું, "આજે આ જ સમજાવવા હું તને ક્યાંક લઈ જવાનો છું. સાંજે રેડી રહેજે. એ પછી આપણે બધા ડિનર કરવા જઈશું." દાદાએ આજનું પ્લાનિંગ કરી રાખ્યું હતું. રોહિત અને દાદા સાંજે તૈયાર થઈ નીકળી પડ્યા. ટેક્ષી ગાંધીઆશ્રમ પાસે આવી ઊભી. રોહિત અહીં પહેલા આવી ગયો હતો સ્કુલમાંથી, પણ તે નાનો હતો એટલે બહુ યાદ નહોતું. દાદા સાથે તે આશ્રમમાં દાખલ થયો. દાદાએ ગાંધીજીના ચશ્મા, લાકડી, ગાંધીબાપુનો રેડીયો, કસ્તુરબાની ઓરડી, મહાદેવભાઈનો ઓરડો, પ્રાર્થના સભા બધા જ વિશે રોહિતને માહિતી આપી. રોહિતને પણ મજા આવી. એક જગ્યાએ આવી રોહિત ઊભો રહી ગયો. બિલકુલ, દાદાએ આપેલ ગિફ્ટ જેવા ત્રણ વાંદરા! રોહિતે દાદા સામું જોયું. "ઓહ દાદા! હવે સમજાવો મને, આ એક બંદરે આંખો બંધ કરી છે, બીજાએ મોં બંધ કર્યું છે, અને ત્રીજાએ કાન બંધ કર્યા છે. આનો શું અર્થ?" દાદાએ રોહિત સામે હસી ને જોયું. તેને સમજાવતા કહ્યું, "જો બેટા, આ જે બંદરે આંખો બંધ કરી છે, તેના દ્વારા કહેવા માંગે છે